એશિઝ શ્રેણી અગાઉ જેક લીચને ઈજા થઈ હતી. જેથી મોઈન અલી નિવૃત્તિ પાછી ખેંચીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં પરત ફર્યો હતો. આ ઉપરાંત હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી તમિમ ઈકબાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે એક દિવસ પછી જ તેણે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. જોકે તે સિક્સ અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. એવું નથી કે માત્ર મોઈન અલી અને તમિમ ઈકબાલે જ નિવૃત્તિ પરત ખેંચી હોય આવા ઘણા દાખલા છે. પાકિસ્તાન માટે વર્લ્ડ કપ જીતનાર ઈમરાન ખાન, જાવેદ મિયાંદાદ, શાહિદ આફ્રિદી પણ નિવૃત્તિમાંથી પરત ફર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. જેમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ થાય છે. તેનું નામ જવાગલ શ્રીનાથ છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી કેવિન પીટરસન પણ આ યાદીમાં સામેલ છે. એક નજર કરીએ આવા ઇલેવન ખેલાડીઓ પર. ઈમરાન ખાન નાઈનટિન એઈટી સેવનના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પાકિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામેની હારના એક દિવસ બાદ લેજન્ડરી ઈમરાન ખાને નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે જ્યારે રાષ્ટ્રપતિ જિયા ઉલ હકે તેમને ફરીથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું કહ્યું તો ઈમરાનનું મન બદલાઈ ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? જેના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો અને નો મિયાંદાદ, નો ક્રિકેટના નારા લગાવવામાં આવ્યા હતા. આ પછી દેશના સ્વર્ગીય વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ મિયાંદાદને પાછા ફરવા માટે સમજાવ્યા હતા. મિયાંદાદ પરત ફર્યો પરંતુ બીજી વખત સુધી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ ન કર્યું. શાહિદ આફ્રિદીએ ટૂ થાઉસન્ડ સેવેનટીનમાં નિવૃત્તિ લીધી હતી અને ટૂ થાઉસન્ડ સિક્સટીનમાં પુનરાગમન કર્યું હતું. તે આધુનિક યુગના સૌથી પ્રભાવશાળી ક્રિકેટરોમાંથી એક છે. વિસ્ફોટક ક્રિકેટર હોવાની સાથે સાથે તે એક શાનદાર સ્પિનર પણ હતો. એક ઓલરાઉન્ડર હોવાને કારણે તેને હંમેશા ટીમમાં સ્થાન મળતું હતું. રડતાં રડતાં નિવૃત્તિ જાહેર કરનાર તમિમ ઇકબાલે એક દિવસ બાદ યૂ-ટર્ન લીધો કેવિન પીટરસન કેવિન પીટરસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ લાંબા સમય સુધી ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમ્યો હતો. ટૂ થાઉસન્ડ ટ્વેલ્વના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપના ચાર મહિના અગાઉ જ્યારે તેણે મર્યાદિત ઓવરોના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટને આંચકો લાગ્યો હતો. પરંતુ સિક્સટી દિવસથી પણ ઓછા સમય બાદ તેણે કહ્યું કે તેઓ ક્યારેય પાછા ફરવા માટે ક્યારેય ના પાડશે નહીં. આ પછી તે પરત ફર્યો હતો અને પછી ઇંગ્લેન્ડ માટે વધુ આઠ વન ડે અને એક ટી-ટ્વેન્ટી મેચ રમ્યો હતો. કાર્લ હૂપર પોતાની પેઢીના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક કાર્લ હૂપરે થર્ટી ટૂ વર્ષની વયે ટેસ્ટ નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે ટૂ થાઉસન્ડ વનમાં વેસ્ટ ઈન્ડીઝની ખરાબ સ્થિતિ બાદ તે ટીમનું સુકાન સંભાળવા માટે પાછો ફર્યો હતો. તેમણે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ, ભારત અને સાઉથ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણીમાં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. આખરે તેઓ ટૂ થાઉસન્ડ થ્રીમાં નિવૃત્ત થયા હતા.